બીચ પર આવેલી તાજ હોટેલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ઘણા લોકોને તેમાં ખાવાની ઈચ્છા પણ થતી હોય છે. પરંતુ તેમના ખિસ્સામાં પૈસા જોઈને ઘણા લોકોની આ ઈચ્છા માત્ર ઈચ્છા જ રહી જાય છે. પરંતુ એક વ્યક્તિએ તાજ હોટલમાં સિક્કાઓથી ભરેલી થેલી સાથે જ ભોજન લીધું હતું. ત્યારપછી જ્યારે બિલ ભરવાની વાત આવી તો તેણે કંઈક એવું કર્યું જેનાથી ત્યાંના સ્ટાફ અને અન્ય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈના કન્ટેન્ટ ક્રિએટર સિદ્ધેશ લોકરેએ સૌપ્રથમવાર તાજ હોટેલમાં જમવાનો પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેની ફૂડ બિલ ભરવાની રીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સિક્કા જોઈને સ્ટાફે શું કર્યું આ વીડિયો મુંબઈના એક કન્ટેન્ટ ક્રિએટરે બનાવ્યો છે. તેનું નામ સિદ્ધેશ લોકરે છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે તેને અચાનક ભૂખ લાગવા લાગી, એટલા માટે તેના મગજમાં એક વિચાર આવ્યો. તેણે હોટેલ તાજમાં જઈને ખાવાનું મન બનાવ્યું. પરંતુ તે જે પૈસા આપશે તે સિક્કામાં હશે. આ પછી, સિદ્ધેશ તાજ હોટલ જતા પહેલા કાળો સૂટ પહેરે છે. તેણે કહ્યું કે તે જીવનમાં પહેલીવાર તાજ હોટલની મુલાકાત લેવા જઈ રહ્યો છે. તે હોટલની અંદર જાય છે અને રાત્રિભોજન માટે પિઝા અને મોકટેલનો ઓર્ડર આપે છે. જ્યારે બિલ ભરવાનો સમય થયો ત્યારે તેણે ખિસ્સામાંથી સિક્કાઓ ભરેલી થેલી કાઢી. આ જોઈને ત્યાંનો સ્ટાફ હસી પડ્યો. સ્ટાફનું કહેવું છે કે આ સિક્કા તેમણે એકવાર ગણવા પડશે. આ જોઈને ત્યાં બેઠેલા બાકીના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ️ આ વીડિયો બનાવવા પાછળ સિદ્ધેશનો ઉદ્દેશ્ય લોકોને તેમના સત્યને છુપાવવા માટે પ્રેરિત કરવાનો છે. ભૂતકાળમાં પણ સિદ્ધેશ જાહેર સ્થળોએ લોકો સાથે આવા ઘણા વીડિયો બનાવી ચૂક્યો છે, જેને તેણે પોતાના હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 'અમે જે રીતે છીએ તે રીતે અમારી જાતને સ્વીકારો અને અન્યની નકલ કરવાનું બંધ કરો. તમારો પોતાનો રસ્તો બનાવો.'